પરંતુ ધીરે ધીરે, તેઓ તેમને મનાવવા માટે સફળ થયા. સાઉલો કહે છે, જાહેરમાં ઘણા લોકો આપણા આ અનોખા સંબંધ વિશે નકારાત્મક ટિપ્પણી કરે છે. તે ખૂબ જ નિરાશાજનક છે પરંતુ તેના પર પ્રતિક્રિયા આપવાને બદલે, અમે તેમને અવગણીએ છીએ. પરસ્પર સંબંધો વિશે દીનો કહે છે કે, મારી ઉંમર મોટી હોવા છતાં મારો સ્વભાવ બાળક જેવો છે. જ્યારે સાઉલો ગંભીર રહે છે અને તે ત્રણેયને જોડતો રહે છે. ત્યાં જ ઓલ્ગા વ્યસ્ત રહે છે. પરંતુ બંનેને સંપૂર્ણ પ્રેમ આપીને સાથે રાખે છે. તેઓ કહે છે કે, જ્યારે કોઈ મુદ્દે અંતિમ નિર્ણય લેવો પડે, ત્યારે ત્રણેય મત આપશે અને તે પછી બહુમતીના આધારે નિર્ણય સ્વીકારવામાં આવશે. અમુક સમયે કેટલાક મુદ્દાઓ પર તેમની વચ્ચે મતભેદો પણ થાય છે. ત્રણેય હાલમાં ફ્રાંસના ટુલૂઝમાં રહે છે અને સાથે બાળકો રાખવા માંગે છે. દીનો કહે છે કે, અમે ઇચ્છીએ છીએ કે ઓલ્ગા મારી અને સાઉલોના બાળકની માતા બને. અમે આખી દુનિયા ફરવા માંગીએ છીએ અને અમારો ધંધો પણ વધારવા માંગીએ છીએ.